મોરબીના ગૌરવ સમીબન્ને છાત્રાઓ સાથે 'મોરબી અપડેટે' ખાસ વાતચીત કરી અને તેનીસિદ્ધિ પાછળની મહેનત જાણવાનો પ્રયાસ કર્યો હતો. મોરબીની નવયુગ વિદ્યાલયની હેત્વી મોકાસણાના પિતા મનસુખભાઈ મોકાસણા સોરમીક ઉદ્યોગપતિ છે. તેમના માતા- પિતા તરફથી મળેલા પ્રત્સાહન અને તેની મહેનતના કારણે આજે તેને જ્વલંત પરિણામ મેળવ્યું છે. હેત્વી મોકાસણાએ 'મોરબી અપડેટ' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તે દિવસભર સૂઇને રાતભર વાંચતી હતી. બધા વિદ્યાર્થીઓને અલગ અલગ સમયે વાંચવાંનું ગમતું હોય છે. તેવી રીતે તેને રાતની શાંતીમાં એકચીત સાથે વાંચવું ગમતું હતું. હેત્વી મોકાસણાએ વધુમાં જણાવ્યું કે તેને અન્ય વિદ્યાર્થીઓની જેમ ટીવી જોવું ગમતું હતું. અભ્યાસની સાથે તે ટીવી અને બેડમિન્ટન જેવી પ્રવૃતિઓ માટે સમય ફાળવતી હતી. તેને કહ્યું કે મનગમતી પ્રવૃત્તિ કરવાથી માઈન્ડ ફ્રેશ થાય છે. અને સ્પોર્ટથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. વધૂમાં હેત્વીએ કહ્યું કે દરેક વિદ્યાર્થીઓએ વાંચન વખતે થોડા થોડા સમયે બ્રેક લઈને મનગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી મગજ સ્વસ્થ રહે અને વાંચેલું યાદ રહે. હેત્વીએ જણાવ્યું કે તેને સાયન્સ પ્રવાહ પસંદ કરીને બી ગ્રુપ રાખવું છે અને ડોકટર બનવુ છે. હેત્વીએ તેની તૈયારી વિશે જણાવ્યું કે તે દરરોજ સ્કૂલમાં ભણાવેલ અભ્યાસનું ઘરે આવીને રિવિઝન કરતી હતી. ઉપરાંત દર રવિવારે આખા અઠવાડિયાના અભ્યાસનું બીજી વાર રિવિઝન કરતી હતી. આમ કરવાથી તેને પરીક્ષા દરમિયાન વધુ મહેનત કરવાની જરૂર પડીહતી. નવયુગ વિદ્યાલયની છાત્રા બોર્ડ પ્રથમ આવતા નવયુગ વિદ્યાલયના સુપ્રીમો પી. ડી. કાંજીયાએ હર્ષની લાગણી વ્યકત કરી હેત્વીને નવયુગની સાથે મોરબીનું ગૌરવ વધારવા બાદલ અભિનંદન પાઠવ્યા હતા. જયારે નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ચાંદની ગોધાણી સામાન્ય પરિવારમાંથી આવે છે તેના પિતા બાંધકામ કોન્ટ્રાકટર છે. ચાંદનીએ 'મોરબી અપડેટ' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તે અભ્યાસ દરમિયાન ટીવી, વોલીબોલ સહિતની અનેક પ્રવૃતિઓ પણ કરતી જેના વડે તે ફ્રેશ ફિલ કરતી હતી. ઉપરાંત તે દરરોજ સવારે યોગા કરતી જેના કારણે અભ્યાસમાં તેનું કૉન્સ્ટ્રેશન જળવાઈ રહેતું હતું.